પરંતુ જરીવાલા દંપતિએ માસુમ પુત્રી આર્યાનો સામાન્ય બાળકની જેમ જ ઉછેર કરવા મન મક્કમ કર્યું હતું. અજય ભાઈ કહે છે કે, એનું નામ આર્યા એટલે જ રાખ્યું. જેનો અર્થ થાય છે અષ્ટ ભૂજા. અમે આર્યાને ક્યારેય એવું ફીલ થવા દીધું નથી કે તે અન્ય બાળકોથી અલગ છે. એની બંધ મુઠ્ઠીમાં જ એના કિસ્મતના દરવાજા ખુલી જાય એ રીતે તેને ઉછેરવાનું નક્કી કર્યું. આર્યાના ડાબા હાથ ખાસ માટે સીલીકોનનો પંજો મંગાવવામાં આવ્યો છે. જેણે આર્યાના બંને હાથ વચ્ચે કુદરતી અને કૃત્રિમ વચ્ચેની ભેદરેખાને ભુંસી નાખી છે. જાગૃત્તિબેન કહે છે કે, હાલમાં લુડ્ઝ કોન્વેન્ટમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી આર્યા સ્કુલની દરેક સાંસ્કૃત્તિક પ્રવૃત્તિમાં ભાગ લે છે. નવરાત્રિમાં બાવીસ સ્ટેપના દોઢીયાથી માંડીને એકાંકીમાં પણ ભાગ લઈને હવે ભરત નાટયમમા પારંગત થવા જઈ રહી છે. છેલ્લાં સાત વર્ષથી કલાગુરુના મેઘનાબેન મહેતા પાસે ભરત નાટયમની અઘરી તાલીમ પુર્ણ કરી છે. કલાગુરુ મેઘનાબેને જણાવ્યું કે, ભરત નાટયમ નૃત્ય શૈલીમાં હાથની મુદ્રાઓ આવશ્યક છે. પરંતુ આર્યાએ કુદરતી અને કૃત્રિમ હાથ વચ્ચેની પાતળી ભેદરેખાને ભરત નાટયમમાં વિશારદ થઈને વિસરાવી દીધી છે. આર્યા અત્યારે આઠમા ધોરણમાં ભણે છે પરંતુ સાથે સાથે આર્યા ભારતનાટ્યમ જેવી ક્લાસિકલ ડાન્સની છેલ્લા સાત વર્ષથી સાધના કરે છે